હવે, તે મારા પાત્ર કરતાં વધુ ધૈર્ય ધરાવે છે અને ઘણું વધારે સક્રિય, સહાય કરવા માટે આપણામાંના કોઈપણને બીજા લોકોની અપેક્ષા કરવાનો કોઈ અધિકાર નથી. તેથી તમને મદદની જરૂર હશે તો તમારે તેના માટે પૂછવું પડશે. અને જ્યારે કોઈ કહે કે તમને સહાયની જરૂર છે, તેઓ કેવી રીતે જાણે કે તમને તે જોઈએ છે? શું તમે ક્યારેય કોઈને અનિચ્છનીય સહાય આપવાનો પ્રયત્ન કર્યો હોય જે બહાર આવ્યું, ખરેખર તમારી મદદ પ્રથમ સ્થાને નહોતી જોઈતી? તેઓ ઝડપથી બીભત્સ થઈ જાય છે. ના તેઓ નથી? બીજો દિવસ સાચી વાર્તા મારી કિશોરવયની પુત્રી શાળા જવા પોશાક પહેરતી હતી અને મેં તે વિશે તેને કેટલીક અનિચ્છનીય સહાય આપવાનું નક્કી કર્યું. મને લાગે છે કે તે તેજસ્વી રંગોમાં સુંદર લાગે છે. તે પ્રકારના ઘાટા વધુ તટસ્થ ટોન પસંદ કરે છે અને તેથી મેં ખૂબ સહાયક રૂપે કહ્યું કે મને લાગ્યું કદાચ તે પાછી ઉપરની બાજુ જશે અને થોડું કંઈક નીરસ શોધવાનો પ્રયત્ન કરશે. તેથી, જો દેખાવ મારી શકે છે, હું અત્યારે અહીં ઊભી ના હોત. આપણને મદદ કરવા માટે સ્વયંભૂપણે ઓફર ન કરવા માટે આપણે અન્ય લોકોને દોષી ઠેરવી શકતા નથી જ્યારે આપણે ખરેખર જાણતા નથી કે તે જ જોઈએ છે. હકીકતમાં, ખરેખર, સંશોધન બતાવે છે કે સહકાર્યકરો કાર્યસ્થળમાં એક બીજાને આપેલી નાઈન્ટી ટકા સહાય સહાય માટે સ્પષ્ટ વિનંતીઓના જવાબમાં છે. તેથી તમારે "મને તમારી સહાયની જરૂર છે" એવા શબ્દો બોલવા પડશે. ખરું ને? તેની આજુબાજુ કોઈ મળતું નથી. હવે, તેમાં સારા બનવા માટે તમે જ્યારે પૂછશો ત્યારે લોકો ખરેખર તમારી મદદ કરશે, તેની ખાતરી કરો. ત્યાં બીજી કેટલીક વસ્તુઓ છે જે ધ્યાનમાં રાખવા માટે ખૂબ જ ઉપયોગી છે. પ્રથમ વસ્તુ, જ્યારે તમે સહાય માટે પૂછશો, તમને જે મદદની ઇચ્છા છે અને શા માટે, તેના વિશે ખૂબ, ખૂબ વિશિષ્ટ બનો. અનિશ્ચિત, સહાય માટેની પરોક્ષ વિનંતીઓ ખરેખર મદદગાર માટે ખૂબ મદદરૂપ નથી, ખરું? અમને ખરેખર તે ખબર હોતી નથી કે તમે અમારી પાસેથી શું ઇચ્છતા હશો અને એટલું જ મહત્વપૂર્ણ, આપણે જાણતા નથી કે આપણે સફળ થઈ શકીએ કે નહીં. તમને મદદ કરવામાં કોઈ ખરાબ સહાય આપવા માંગતો નથી. મારી જેમ તમને કદાચ આ વિનંતીઓમાંથી કેટલીક મળે લિંક્ડઇન પર સંપૂર્ણ સુખદ અજાણ્યાઓ તરફથી જેઓ "કોફી ઉપર ભેગા થવું અને કનેક્ટ થવું" જેવી વસ્તુઓ કરવા માંગે છે અથવા "તમારું મગજ પસંદ કરો." હું દર વખતે આ વિનંતીઓને શાબ્દિક રીતે અવગણું છું. અને એવું નથી કે હું કોઈ સરસ વ્યક્તિ નથી.